એક કે જેમાં આપણે બધા રોકાણ કરી શકીએ અમારા જીવનને પૃથ્વી પર લાંબુ ટકાવી રાખવા અથવા અહીં અમારા મિત્ર કહેશે આભાર. હું તમને એક લવ સ્ટોરી કહેવા માંગુ છું. પરંતુ તેનો અંત ખુશ નથી. એ સમયે હું પાંચ વર્ષ પહેલાં જીદ્દી હતો, જ્યારે મેં દરિયાઇ જીવવિજ બનવાનું નક્કી કર્યું હતું .ચોત્રીસ વર્ષ, ચારસો સ્કુબા ડાઇવ્સ અને એક પીએચડી પછી, હું હજી પણ સમુદ્ર સાથે મોહિત છું. મેં એ દાયકામાં માછીમારી સમુદાયો સાથે કામ કર્યું. કેરેબિયનમાં માછલીની ગણતરી, માછીમારોની મુલાકાત લેવી, ફિશિંગ ગિયરને ફરીથી ડિઝાઇનીંગ કર્યું અને વિકાસ નીતિ. હૂં એને સમજાવામાં મદદ કરું છું કે ટકાઉ વ્યવસ્થા શું હોય તે સ્થાનો જ્યાં અન્ન, સુરક્ષા, નોકરી અને સંસ્કૃતિઓ બધા સમુદ્ર પર આધાર રાખે છે, આ બધાની વચ્ચે હું પ્રેમમાં પડી ગયો માછલી સાથે. હું તમને આ માછલી વિશેની પાંચ અવિશ્વસનીય વસ્તુઓ કહેવા માંગુ છું પ્રથમ, તેઓનું મોં પોપટની ચાંચ જેવું હોય છે, જે પરવાળાને કરડવા માટે પૂરતું મજબૂત છે, જોકે મોટે ભાગે તેઓ શેવાળ પછીના છે. તેઓ રીફના મોવર છે. આ કી છે, કારણ કે ઘણા ખડકો શેવાળથી વધુ ઉગાડવામાં આવે છે પોષક પ્રદૂષણને કારણે ગટર અને ખાતરમાંથી જમીનની અંદર ચાલે છે. અને ત્યાં પૂરતા પ્રમાણમાં પોપટ ફિશ જેવા શાકાહારી જીવ નથી. જેના કારણે ખડકો પર છોડી દીધી તે બધા ઘાસ કાપવા માટે ઠીક છે. બીજી આશ્ચર્યજનક વસ્તુ. ઉપરાંત, સાચા દિવા શૈલીમાં તેમને જીવન દરમ્યાન ઘણા કપડા બદલ્યા છે. એક કિશોર પોશાક, મધ્યવર્તી ગેટઅપ, અને ટર્મિનલ દેખાવ. ચોથું, આ છેલ્લા કપડા ફેરફાર સાથે સ્ત્રીથી પુરુષમાં લિંગ પરિવર્તન આવે છે, ક્રમિક ક્રમિક હર્મેફ્રોડિટિઝમ પછી આ મોટા નર ભેગા થાય છે ફેલાવવા માટે સ્ત્રીઓના. વિજાતીય એકવિધતા ચોક્કસપણે પ્રકૃતિની સ્થિતિ નથી અને પોપટફિશ ઉદાહરણ આપે છે સુંદરતાના કેટલાક વિવિધ પ્રજનન વ્યૂહરચના. પાંચમું અને સૌથી અતુલ્ય થોડી વાર જ્યારે પોપટફિશ રાત્રે રીફની એક હૂંફાળું માં હૂંફાળું, તેઓ લાળ પરપોટો સ્ત્રાવ તેમના માથા માં એક ગ્રંથી થી તે તેમના આખા શરીરને પરબિડીયામાં મૂકે છે. આ શિકારીથી તેમની સુગંધ માસ્ક કરે છે અને તેમને પરોપજીવીઓથી સુરક્ષિત કરે છે, જેથી તેઓ નિંદ્રાધીન સૂઈ શકે. મારો મતલબ, આ કેટલું સરસ છે. તેથી આ એક કબૂલાત છે પોપટ ફિશ માટે મારા પ્રેમનો તેમના બધા ભડકાઉ, શેવાળ-ખાવું, રેતીથી છૂપો કરવો, સેક્સ-બદલાતી ગૌરવ. પરંતુ આ પ્રેમ સાથે હૃદયનો દુખાવો આવે છે. હવે તે જૂથો અને સ્નેપર્સ દુ: ખી રીતે વધારે પડ્યા માછીમારો પોપટ ફિશને નિશાન બનાવી રહ્યા છે. સ્પિયરફિશિંગ એ મોટી જાતિઓ